કાટમાળનું ખોદકામ દિવસ-રાત ચાલુ છે. તે જ સમયે વધતી જતી ઠંડી અને હિમવર્ષાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. ઠંડીના કારણે કાટમાળ નીચે દટાયેલા લોકોને હવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આંકડાઓ અનુસાર, તુર્કી અને સીરિયામાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે લગભગ એક લાખ લોકો રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ છે, જેમાં વિવિધ દેશોની ટ્રેન્ડ ટીમો પણ સામેલ છે. જો કે, હજુ પણ બચાવકર્તાઓની સંખ્યા ઘણી ઓછી છે. કાટમાળની અંદરથી લોકો ચીસો પાડી રહ્યા છે, પરંતુ તેમને બહાર કાઢવા માટે કોઈ નથી. જેમ જેમ બચાવ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે તેમ તેમ મૃતકો અને ઘાયલોના આંકડા પણ વધી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સોમવારના વિનાશક ભૂકંપ પછી તુર્કી અને સીરિયામાં તબીબી પુરવઠો સાથે નિષ્ણાત ટીમો અને ફ્લાઇટ્સ તૈનાત કરી રહી છે. ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે બુધવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે સેવાઓના સંકલન માટે ત્રણ લોકોની ટીમ પણ રવાના થશે. તુર્કી પોલીસ દ્વારા કરાયેલ ટ્વિટ અનુસાર, તુર્કીના જીવલેણ ભૂકંપ વિશે સોશિયલ મીડિયા પર 'ઉશ્કેરણીજનક પોસ્ટ્સ' માટે તુર્કી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. સાથે જ અઢાર લોકોની અટકાયત કરવામાં આવી છે. વિનાશક ભૂકંપના કારણે થયેલી ભારે તબાહીના બે દિવસ બાદ પણ કાટમાળમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાની ઘટનાઓ બહુ ઓછી છે. મોટા ભાગના મૃતદેહો કાટમાળમાંથી મળી આવ્યા છે. આટલું જ નહીં, કડકડતી ઠંડી અને સતત હળવા આંચકા એ બચાવ કાર્યને વધુ મુશ્કેલ બનાવી દીધું છે. તે જ સમયે, પડોશી દેશ સીરિયામાં સ્થિતિ વધુ ખરાબ છે. બાર વર્ષના ગૃહયુદ્ધ અને શરણાર્થીની કટોકટીથી ઘેરાયેલા દેશમાં સંઘર્ષ દરમિયાન સરકાર અને બળવાખોરો દ્વારા ત્યજી દેવાયેલા શહેરો અને નગરોને પણ ભૂકંપની અસર થઈ હતી. આવા શહેરો મદદ માટે પોકાર કરતા લોકોના અવાજો થાકી જાય છે. ભારતે જી-ટ્વેંટી અંતર્ગત સીરિયાને મદદ કરવાની જાહેરાત કરી છે। ભારત સતત તુર્કી અને સીરિયાની મદદ કરવામાં લાગેલું છે. અત્યારે ની ઘણી ટીમો તુર્કીમાં લોકોને બચાવવામાં વ્યસ્ત છે.